કૂચ બિહારમાં ભાજપના પોલિંગ એજન્ટની હત્યા કરવામાં આવી હતી. પૂર્વ બર્દવાન જિલ્લામાં ગઈકાલે સાંજે ગંભીર રીતે ઘાયલ થયેલા સીપીઆઈ કાર્યકરનું આજે સવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઉત્તર ચોવીસ પરગનાના કદમબાગાચીમાં અથડામણમાં અપક્ષ ઉમેદવારના સમર્થક ગંભીર રીતે ઘાયલ થયા છે. બે રાજ્યો વચ્ચેની હિંસા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો કેવી રીતે બની? તેમણે કહ્યું કે, સવારે અગિયાર વાગ્યા સુધી રાજ્યમાં બાવીસ પોઈંટ છ ટકા મતદાન નોંધાયું હતું. ભારતીય જનતા પાર્ટીએ શનિવારે આરોપ લગાવ્યો કે, સરકાર હેઠળનું પશ્ચિમ બંગાળ લોકશાહીમાં હિંસાનું દુઃખદ ઉદાહરણ બની ગયું છે. પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા પર ટીએમસી પર પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાનનું કેન્દ્ર હતું. હવે તે ગુનાઓ, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને તુષ્ટિકરણ માટે જાણીતુ બની ગયું છે. પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે પરિસ્થિતિનો તાગ મેળવવા વિવિધ જિલ્લાઓમાં લોકોને મળ્યા હતા. હિંસક ઘટનાઓની નિંદા કરતા તેમણે કહ્યું કે, આનાથી આપણે બધાએ ચિંતા કરવી જોઈએ. લોકશાહી માટે આ સૌથી પવિત્ર દિવસ છે, ચૂંટણી બુલેટથી નહીં પરંતુ બેલેટથી થવી જોઈએ. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી સંબંધિત હિંસામાં જાનહાનિની નિંદા કરી છે. વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ એ આરોપ લગાવ્યો કે, રાજ્ય ચૂંટણી પંચ એ કલકત્તા હાઈકોર્ટના આદેશ મુજબ કેન્દ્રીય દળોને તૈનાત કર્યા નથી. કોંગ્રેસના નેતા કૌસ્તવ બાગચીએ કહ્યું કે, તેમણે કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રજૂઆત કરી છે, જેમાં હિંસા અને હત્યાની ઘટનાઓને કારણે પશ્ચિમ બંગાળમાં શનિવારની પંચાયતની ચૂંટણીઓને અમાન્ય કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકને આજે દિનહાટામાં મતદાન મથકના ગેટ પર થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા, જ્યારે તેઓ મતદાન કરવા જઈ રહ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ તેમને ટાંકીને કહ્યું, "પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? જો તેઓ કેન્દ્રીય મંત્રીને વોટ આપવાથી રોકી શકે છે, તો હું કલ્પના કરી શકતો નથી કે સામાન્ય લોકો શું અસર હશે. બંગાળમાં કાયદાના શાસનની સંપૂર્ણ નિષ્ફળતા રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ ચોવીસ પરગણા જિલ્લામાં એક વિસ્ફોટમાં બે બાળકો ઘાયલ થયા હતા, જ્યારે તેઓએ બોલ સમજીને રસ્તાની બાજુએ રાખેલો બોમ્બ ઉપાડ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં પંચાયત ચૂંટણીના મતદાનની વચ્ચે ભાંગોરમાં આ ઘટના બની હતી. એક અધિકારીએ જણાવ્યું કે, બે બાળકોએ બોમ્બને બોલ સમજી લીધો અને તેમાંથી એકે તેને અડતા જ તે વિસ્ફોટ થયો. વધુ બોમ્બ છે કે કેમ, તે શોધવા માટે સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.